આ મેચમાં ભારતે પ્રથમ ઇનિંગ્સમાં ચારસો આડત્રીસ રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં માત્ર બસો પંચાવન રન જ બનાવી શકી હતી. વેસ્ટ ઈન્ડીઝ તરફથી પ્રથમ ઈનિંગ્સમાં કેપ્ટન ક્રેગ બ્રેથવેટ બેસ્ટ સ્કોરર રહ્યો હતો. તેને પંચોત્તેર રન બનાવ્યા હતા. ભારત તરફથી પ્રથમ ઇનિંગ્સનો સૌથી સફળ બોલર સિરાજ રહ્યો હતો. સિરાજે ત્રેવીસ પોઇન્ટ ચાર ઓવરમાં સાઠ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. અશ્વિનને માત્ર એક જ વિકેટ મળી હતી. ભારતીય ટીમ આ મેચની પ્રથમ ઇનિંગ્સમાં વિરાટ કોહલીની ઓગણત્રીસ મી ટેસ્ટ સદીની મદદથી ચારસો નો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. કોહલીએ એક સો એકવીસ રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન રોહિત શર્મા સદીની નજીક પહોંચી ગયો હતો અને એંસી રન બનાવ્યા હતા. અશ્વિને છપ્પન રન બનાવ્યા હતા. ઋષભ પંત વનડે વર્લ્ડકપમાં રમી શકશે કે નહીં, છત્રીસ વર્ષીય રોહિત શર્મા ક્યાં સુધી ટેસ્ટ ક્રિકેટ રમશે? વસીમ જાફરે આપ્યો જવાબ વસીમ જાફરે કહ્યું હું માનું છું કે અજિંક્ય રહાણે કેપ્ટનશિપનો પ્રબળ દાવેદાર છે પરંતુ જો તે રન નહીં બનાવે તો મુશ્કેલી પડશે. ઋષભ પંત અને રોહિત શર્મા વન-ડે વર્લ્ડકપ બે હજાર ત્રેવીસ નું આયોજન ભારતમાં થશે અને આ ટૂર્નામેન્ટ પાંચ ઓક્ટોબરથી શરુ થશે અને ફાઈનલ ઓગણીસ નવેમ્બરે રમાશે. આ ટૂર્નામેન્ટને શરૂ થવામાં થોડો સમય બાકી છે, પરંતુ ભારતીય પસંદગીકારોની નજર હવે આ ટૂર્નામેન્ટ માટે શ્રેષ્ઠ પંદર ખેલાડીઓની પસંદગી કરવા તરફ છે. જોકે ભારતીય ટીમના કેટલાક સ્ટાર ખેલાડીઓ તેમની ઈજામાંથી બહાર આવી રહ્યા છે અને તેઓ આ ટૂર્નામેન્ટમાં રમી શકશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર અને જિઓ સિનેમા એક્સપર્ટ વસીમ જાફરે આ ખેલાડીઓ વિશે પોતાની વાત સામે રાખી અને પચીસ વર્ષનો રિષભ પંત વન ડે વર્લ્ડ કપમાં રમી શકશે કે નહીં તેનો જવાબ આપ્યો હતો. તેણે એ પણ જણાવ્યું કે છત્રીસ વર્ષીય રોહિત શર્મા કેટલી ઉંમર સુધી ટેસ્ટ રમી શકે છે અને રહાણે આગામી ટેસ્ટ કેપ્ટન માટે સૌથી મોટો દાવેદાર છે. રિષભ પંત વન-ડે વર્લ્ડકપમાં રમી શકશે નહીં ઋષભ પંત વિશે વાત કરતા વસીમ જાફરે કહ્યું કે હું કહીશ કે તેણે ઉતાવળ ન કરવી જોઈએ. તે ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે અને ભાવિ કેપ્ટન પણ બની શકે છે. આવી સ્થિતિમાં આપણને એ ઋષભ પંત જોઈએ જે સંપૂર્ણપણે ફિટ હોય. મને નથી લાગતું કે તે વન-ડે વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ માં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી શકશે. તમને જણાવી દઈએ કે ઋષભ પંતની કારનો ત્રીસ ડિસેમ્બર બે હજાર બાવીસ ના રોજ એક ભયાનક અકસ્માત થયો હતો અને તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. હાલ તે એનસીએમાં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે, પરંતુ તે ક્યાં સુધી મેદાન પર પરત ફરશે તે અંગે કંઇ સ્પષ્ટ નથી.